સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પાંચસો મી મેચ સુધી પંચોત્તેર સદી ફટકારી હતી. પરંતુ વિરાટ કોહલીએ છોતેર સદી ફટકારીને તેને પાછળ છોડી દીધા છે. વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની આ અઠ્યાવીસ મી સદી છે, જ્યારે આ મામલે સચિન તેંડુલકર જ તેના કરતા વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધારે સદી ફટકારી હતી. આ પણ વાંચો કયા કારણોથી અર્શથી ફર્શ પર પહોંચી વેસ્ટ ઇન્ડીઝની ટીમ, માં જુઓ રોહિત શર્માએ શું કહ્યું કોહલીએ વિલિયમ્સનને પાછળ છોડી દીધો ફેબ ફોરની વાત કરીએ તો વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી અઠ્યાવીસ સદી ફટકારનાર કેન વિલિયમ્સનને પાછળ છોડી દીધો હતો. કોહલીની આ ઓગણત્રીસ મી સદી હતી અને તેણે વિલિયમ્સનને પાછળ રાખી દીધો છે. કાલિસે વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે બાર સદી ફટકારી હતી. આ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સુનિલ ગાવસ્કરના નામે નોંધાયેલો છે. ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે તેર સદી ફટકારી છે. ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ બીજી ટેસ્ટ કોહલી પાંચસો મી આંતરરાષ્ટ્રીય મેચમાં પચાસ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો, પોન્ટિંગ અને કાલિસનો મોટો રેકોર્ડ તોડ્યો ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ બીજી ટેસ્ટ કોહલી પાંચસો મી આંતરરાષ્ટ્રીય મેચમાં પચાસ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો, પોન્ટિંગ અને કાલિસનો મોટો રેકોર્ડ તોડ્યો વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સત્યાસી રન બનાવીને અણનમ રહેલો વિરાટ કોહલી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં એક સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પાંચસો મી મેચ રમી રહ્યો છે. વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડીઝ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પાંચસો મી મેચ રમી રહ્યો છે. કેરેબિયન ટીમ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પ્રથમ દિવસના દિવસના અંત સુધીમાં વિરાટ કોહલીએ સત્યાસી રન બનાવી લીધા છે અને તે ક્રિઝ પર છે. કોહલીએ આ ઈનિંગ્સની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવવાના મામલે મોટી સિદ્ધિ મેળવી છે અને જેક કાલિસ જેવા લિજન્ડને પાછળ રાખી દીધો છે. આ સિવાય પાંચસો મી આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારનારો દુનિયાનો સૌપ્રથમ ક્રિકેટર પણ બન્યો છે. આ મેચમાં કોહલીએ સત્તાણુ બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી હતી.